ધારાસભ્યને આનો અધિકાર છે. જોકે, આ મામલે સ્પીકર સીપી જોશીએ રાજીનામાઓ ઉપર કોઈ નિર્ણય લીધો નથી. રાજીનામા વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા છે. બીજેપીને આ આખી બબાલમાં પોતાના માટે એક આશા દેખાઈ રહી છે. પાર્ટી માની રહી છે કે અત્યારે ચૂંટણી થાય છે તો તેના માટે ફાયદો છે. કારણ કે સચિન – ગેહલોતના ઝઘડાથી લોકો પણ કોંગ્રેસથી લગભગ કંટાળી ગયા છે. ચૂંટણી પછી થઈ તો ડેમેજ કંટ્રોલ થઈ શકે છે. અશોક ગેહલોતરાજકારણરાજસ્થાનસચિન પાયલોટ:।: ના તિવારીજીએ જનસંઘ સાથે મુખ્તાર અબ્બાસ નકવીની નિકટતા વધારી, જાણો કેવી રીતે ભાજપમાં જોડાયા: ના તિવારીજીએ જનસંઘ સાથે મુખ્તાર અબ્બાસ નકવીની નિકટતા વધારી, જાણો કેવી રીતે ભાજપમાં જોડાયા: મુખ્તાર અબ્બાસ નકવીના રાજકીય કરિયર અને તેમની લવ લાઈફ વિશે અવાર નવાર મીડિયામાં વાત થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, નકવીએ કોર્પોરેટ અને ટ્રાફિક સિગ્નલ જેવી ફિલ્મો માટે પટકથા પણ લખી છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી કટોકટી વિરોધી ચળવળમાંથી જન્મેલા નેતા છે. આર્ટસ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા બાદ નકવી નેતા બનવાની વાર્તા રસપ્રદ છે. મુખ્તાર અબ્બાસ નકવીએ. ના કાર્યક્રમ 'બેબાક'માં પોતાના નેતા બનવાની પુરી કહાની કહી. કાર્યક્રમમાં. ના એડિટર વિજય કુમાર ઝા સાથેની વાતચીતમાં નકવીએ અંગત અને રાજકીય સફર સાથે જોડાયેલી ઘણી યાદો શેર કરી. નકવી જનસંઘમાં કેવી રીતે જોડાયા? ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી ત્યારે મુખ્તાર અબ્બાસ નકવી વિદ્યાર્થી જીવનમાં હતા. તો, તેઓ ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ આંદોલનમાં જોડાવા લાગ્યા.. ના સંપાદક વિજય કુમાર ઝાએ જ્યારે જનસંઘની નજીક આવવાની વાર્તા વિશે પૂછ્યું, ત્યારે તેમણે શિવેન્દ્ર તિવારી નામના કાર્યકરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, "મારો શિવેન્દ્ર તિવારી નામનો મિત્ર હતો. તે વિદ્યાર્થી પરિષદ માં હતા. તેઓએ જ મને જનસંઘ/ભાજપ તરફ આકર્ષ્યો. તે મારાથી ઘણા સિનિયર હતા. અલ્હાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા હતા. સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી પણ લડવા માંગતો હતો, પણ લડી શક્યો નહોતો. તેમણે તેમને ખૂબ આકર્ષ્યા. તેમની મિત્રતાના ઊંડાણનું વર્ણન કરતાં, નકવીએ કહ્યું, "હું તેમને કટોકટી પહેલા ઓળખતો હતો. ગાઢ મિત્રતા હતી. અમે એકબીજાના ઘરે જમવા પણ જતા. ઘણી વખત તેઓ મને સંઘના કાર્યક્રમમાં લઈ જતા. તેથી તેમના પરથી ભાજપ વિશેની મૂંઝવણ દૂર થઈ. ત્યારે મને સમજાયું કે, આ પણ એક રાજકીય પક્ષ છે. થી લઈને એ મેદાનમાં કૂદવું પડ્યું: કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? શરદ અને અજિત પવાર વચ્ચે એક કલાક 'ગુપ્ત બેઠક' ચાલી તમે પહેલા જનસંઘ વિશે શું વિચારતા હતા? નકવીને આગળનો પ્રશ્ન એ હતો કે, તેઓ જનસંઘ વિશે પહેલા શું વિચારતા હતા અને પછીથી તેમને એવું શું કહેવામાં આવ્યું, જેનાથી તેમનો વિચાર બદલાઈ ગયો? જવાબમાં, તેણે કહ્યું, "ના! મને કોઈએ કાઈં કહ્યું નહીં, કોઈએ કહ્યું નથી. મને લાગ્યું કે જે ચિત્ર જનસંઘનું ઉભુ કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે, તે કોંગ્રેસનો સમય હતો, જ્યારે અમારી ધરપકડ કરવામાં આવી હતી, તે સમયે હું સાંપ્રદાયિક ભાવના જોઈ શકતો હતો.